તમારા ઘરના બાહ્ય ભાગને રંગવા માટે ગુલાબી અને જાંબુડિયાના સોફ્ટ શેડ્સનું સ્માર્ટ કોમ્બિનેશન બનાવો. દિવાલોને તટસ્થ ગુલાબી શેડમાં અને છતને જાંબલી રંગમાં રંગવાનું પસંદ કરો. તમારા ઘરના બાહ્ય ભાગને સમકાલીન અને આવકારદાયક લાગે તે માટે સરહદો અને પ્રવેશ દ્વાર સફેદ રંગમાં રાખો. ગરમ અને નરમ અપીલ સાથે જાંબલી અને ગુલાબી ઘરનો રંગ. બહાર ગ્રે, બેજ અને કોરલ. ઘરની બહારનો રંગ નક્કી કરતી વખતે ઘણા લોકો એક રંગ વિકલ્પ પસંદ કરવાનું વલણ ધરાવે છે અને તેના વિવિધ શેડ્સ પર કામ કરે છે. પરંતુ શું તમે ક્યારેય ત્રણ અલગ-અલગ શેડ્સ માટે જવાનું વિચાર્યું છે? હા, તે અમલમાં મૂકવું થોડું મુશ્કેલ લાગે છે, પરંતુ યોગ્ય સંયોજન સાથે તે માત્ર અર્થપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, મુખ્ય દરવાજા પર નારંગીનો સ્પ્લેશ પસંદ કરો અને છત પર રાખોડી. દરવાજાના લાકડાના બીમ પર કોરલના સંકેત સાથે ઘરના શરીર માટે માટીના રંગેલું ઊની કાપડ માટે જાઓ. રંગબેરંગી સૂર્યાસ્તની પૃષ્ઠભૂમિ સાથે બહારનો ગ્રે, બેજ અને કોરલ ઘરનો રંગ કારામેલ. બહાર તમારા ઘરના બાહ્ય ભાગને અપડેટ કરતી વખતે બધા બહાર જાઓ અને તમને ગમે તે રંગ પસંદ કરો. જો કે, જો તમે તમારું ઘર વેચવાની યોજના ઘડી રહ્યા હો તો નાટકીય વસ્તુને બદલે ક્રાઉડ-પ્લીઝર પસંદ કરવું શ્રેષ્ઠ છે. જ્યારે ક્લાસિક સફેદ અને ક્રીમ સૌથી વધુ પસંદગીના વિકલ્પો છે, ત્યારે કારામેલ શેડ પસંદ કરવાથી નુકસાન થશે નહીં. ઘરની બહારના રંગની સુંદરતાછે કે તે કુદરતી વાતાવરણ સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે. સ્ટાઇલિશ પરિણામ માટે તેને ઘેરા બદામી રંગની છત, દરવાજા અને બારીઓ સાથે જોડો. ઘરની બહારનો કારામેલ રંગ તમારા ઘરના વૈભવી દેખાવમાં વધારો કરે છે. બહારનો તેજસ્વી વાદળી, રાખોડી અને પીળો ઘરનો રંગ તેજસ્વી રંગોમાં કંઈક જાદુઈ છે જે આંતરિક અને બાહ્ય બંનેને આવકારદાયક આકર્ષણ આપે છે. વાઇબ્રન્ટ વાદળી, રાખોડી અને પીળા રંગના મિશ્રણ સાથે તમારા ઘરના બાહ્ય ભાગને બોલ્ડ, ભવ્ય અને આમંત્રિત દેખાવ આપો. ખુશખુશાલ અને આકર્ષક અને સકારાત્મક ઊર્જાને આમંત્રિત કરવા માટે રવેશને વાદળી, છતને રાખોડી અને દરવાજાને પીળો રંગ કરો. ઘરની બહારનો બોલ્ડ અને ખુશખુશાલ રંગ સારા વાઇબ્સનું સ્વાગત કરે છે. બર્ન ઓરેન્જ અને ગ્રે ઘરનો રંગ બહાર બળેલો નારંગી, એમ્બર અથવા ટેરાકોટા એક એવો રંગ છે જે આંતરિક અને બહારના ભાગમાં હૂંફનો આડંબર ઉમેરે છે. એક ઉત્તમ રંગ યોજના બનાવવા માટે તેજસ્વી અને નાટકીય રંગને ભવ્ય ગ્રે રંગ સાથે જોડી દો. બળી ગયેલી નારંગી રંગની બાહ્ય દિવાલોને રંગ કરો, છત પર ઘેરા રાખોડી રંગનો સ્પ્લેશ ફેંકો અને ઘાટા રંગ છટાના વાઇબ્રન્સને સંતુલિત કરવા માટે કિનારીઓ માટે સફેદ પસંદ કરો.